મારી લાઈફ સેવ કરવામાં સાયકાયટ્રિસ્ટનો બહુ જ મોટો રોલ છે. રૉબર્ટ બોલ્યો. "અચ્છા કઈ રીતે?" જેનીએ પૂછ્યું. "વાત ઘણી જૂની છે!" રૉબર્ટ બોલ્યો. "જ્યારે આ બિઝનેસ શરૂ કર્યો ત્યારે મને નહોતી ખબર કે હું પણ આ વ્યસનમાં સપડાઈ જઈશ. પચ્ચીસ વર્ષની ઉંમરે હું આ આલ્કોહોલના વ્યસનના લીધે સ્યુસાઇડ કરવા સુધી પહોંચી ગયેલો અને એક સાઇકાયટ્રિસ્ટે મને બચાવી લીધેલો. શી વોસ વેરી બ્યુટીફુલ લેડી. એના કામથી અને એના સ્વભાવથી, પણ એનું નામ હું નથી જાણતો. પણ મારી લાઈફ માટે તે સૌથી વધુ અગત્યની છે. ગોડને હંમેશા પ્રે કરૂ છુ કે એક વાર તે મળી જાય. લાસ્ટ વિશ મારી એટલીજ છે કે હું એને થેન્ક્સ કહી શકુ." "એને તમને મળાવવા મારાથી બનતી કોશિશ હું કરીશ." જેની બોલી. "થેન્ક્સ જેની, મને વિશ્વાસ છે તમે મને એના સુધી પહોંચાડી જ દેશો." રૉબર્ટ બોલ્યો. કારની સ્પીડ વધી રહી હતી, સાથે-સાથે બંનેની વાતો પણ. અચાનક જ જેનીનું ધ્યાન કારમાં રહેલી એક વસ્તુ પર પડ્યું. અને તે બોલી, "ઓહ ગોડ, આઈ લવ ધીસ. આ ઓર્કિડ મારા ફેવરિટ છે." સામે બ્લૂ ઓર્કિડનું એક બુકે પડ્યું હતું. "સોરી જેની, પણ આ મારી વાઇફ માટે છે, એટલે હું તમને નહીં આપી શકુ." રૉબર્ટે કહ્યું. "તમારી વાઇફ માટે છે તો હું માંગી પણ નઈ શકું!" જેનીએ દુઃખી મોઢે કહ્યું, "યુ આર લકી કે તમને આટલા કેરિંગ વાઈફ મળ્યા છે. મારા હસબન્ડ અને હું આ વાતમાં લકી નથી!" જેની એ ઘટસ્ફોટ કર્યો. "કેમ તમે આવું કહો છો?" રૉબર્ટે પૂછ્યું. "આ જગ્યાએ મારા મેરેજ થયેલા." ઓલ્ડ ચર્ચના રસ્તા પરથી જતા જેનીએ કહ્યું. "પીટર નામ હતું એનું. મને હજી પણ યાદ છે જ્યારે એ મને પ્રપોઝ કરવા આવેલો, એટલી હદે એ ડ્રન્ક હતો કે લથડીયા મારતા-મારતા કરેલું, એનું યુનિક પ્રપોસ મને ક્યારેય નહીં ભુલાય. બધું જ એકદમ પરફેક્ટ હતું લાઇફમાં. પાલોલેમ બિચ ઉપર વિતાવેલા અમારા 'હનીમૂન' ના દિવસો ખૂબ યાદગાર હતા. ઠંડી રાતોમાં દરિયાકિનારે એ ઠંડી માટી પર ચાલતા-ચાલતા થતો એકબીજાનો એ હૂંફાળો સ્પર્શ રૉબર્ટ એ હું ડિસ્ક્રાઈબ કરી શકુ તેમ નથી. અમારી આખી દુનિયાની ખુશીઓ, અમારા બંનેનો અંશ એવો મારો દિકરો સેમ મને ઈશ્વરે આપ્યો. અને મેરેજના પાંચ વર્ષ બાદ થયેલો એ એકસીડન્ટ! પીટરને હું વારે-વારે સમજાવતી કે, પ્લીઝ કાર ધીરે ચલાવ. પણ મારુ પ્લીઝ એણે સાંભળ્યું જ નહીં, અને એક્સિડન્ટ બાદ એ પ્લીઝ સાંભળવા માટે બચ્યો પણ નહીં." જેનીની આંખોમાંથી આંસુઓનો વરસાદ વરસતો